આયુર્વેદ ના અભ્યાસક્રમની શરૂઆત થાય ઇમર્જન્સી ઉપચારથી, તે પછી તાવ, શરદી,કબજિયા કબજિયાત જેવા રોજિંદા રોગો ઘરગથ્થુ હિંગ, લસણ, અજમા, મરી, પાણી જેવાં ઔષધો તુલસી, લીમડો, મરવો, કુંવારો જેવી આંગણાની અને નગોડો, અરડૂસી, આકડો, આવળ કે ગળો જેવી ગ્રામ્ય ઔષધિ. છેલ્લે શીખવવામાં આવે ઔષધ પેટીનાં કે ઘર ઉપયોગી હરડે, હિંગાષ્ટક, ત્રિફળા, સૂંઠ, સિતોપલાદિ જેવાં ઔષધો તેમજ પથ્યાપથ્ય અને પરિચર્યા. ગ્રામજીવનમાં કે ગૃહસ્થજીવનમાં જ્યારે કોઈ મદદ મળવી શક્ય ન હોય ત્યારે રક્તસ્રાવ, સદ્યવ્રણ, પાક, વીંછીવિષ, સર્પવિષ, હડકાયાનો દંશ, દાઝવું, ડૂબવું, મૂઢમાર થવો; શિરઃશૂળ, કર્ણશૂળ, દાઢશૂળ, છાતીનો દુખાવો કે ઉદરશૂલ, જાડા ઝાડા, ઊલટી, વરાધિક્ય, આંચકી, કૉલેરા, બેભાન, વાઈ, મૂત્રાવરોધ કે મૂઢગર્ભ આદિ ત્વરિત ઉપાય માગતા રોગોની નોંધ વિદ્યાર્થી આજીવન ઉપયોગી માનીને કરી લેતા. વીંછીના વિષમાં અધેડો ઘણો અસરકારક છે એટલું જ નહીં, તેનું મૂળ એક હાથમાં પકડી બીજા હાથમાં વીંછી પકડવાથી તે કરડતો નથી કે કરડ્યો હોય તો ચડતો નથી! સઘવ્રણમાં રક્તસ્રાવ થાય ત્યારે કંઈ ન મળે ત્યારે હાજર હોય તો કેવળ હરડેનું બારીક ચૂર્ણ વ્રણ ઉપર દબાવી સખત પાટો બાંધી દેવો. આ વાત સમજવા એક સત્ય ઘટના ઉપર આધારિત કિસ્સો સાંભળવા જેવો છે. શ્રી મનુ સાવલિયા લોકભારતી ગ્રામવિદ્યાપીઠના આરોગ્યમંત્રી. આયુર્વેદમાં અચલ શ્રદ્ધા; વાંચે આયુર્વેદનું, કામ કરે આયુર્વેદનું, વિચારે આયુર્વેદનું. આયુર્વેદનો પ્રચાર કરવા આરોગ્ય વિસ્તરણનું પ્રત્યક્ષ જ્ઞાન લેવા મિત્રો સાથે દર સોમવાર અને ગુરુવારે સાઈકલો લઈ પ્રચારના પ્રદર્શનચાર્ટ્સ અને ઔષધપેટી લઈ આસપાસનાં દસ-બાર ગામડાંમાં પણ જાય. છાત્રાલયમાં કોઠારમંત્રી એટલે ગોળનો ડબ્બો તોડવાનું કામ એના હાથમાં આવ્યું અને ગોળ કાઢતાં અચાનક પતરાની ઘાર હાથમાં પેસી ગઈ. અંગૂઠાના મૂળમાં જીવસાક્ષિણી નાડી પાસે જ બે ઈંચ લાંબો કાપો પડી ગયો. પાતળું લોહી પુષ્કળ વહેવા માંડ્યું. છાત્રો એકઠા થઈ ગયા. કોઈને બોલાવવાની તસ્દી લેતાં પહેલાં, દરેક છાત્રાલયે ખાસ આવશ્યક દવાઓમાં આપવામાં આવતી હરડે બાટલી બોધરાએ વણસ્થાન પર ઠલવી દઈ, દબાવી સખત પાટો બાંધી દેવામાં આવ્યો. પતરું લાગ્યું હતું છતાં, વ્રણ મોટો હતો છતાં, શીખવવામાં આવ્યા પ્રમાણે વાતશામક અને રોપણરૂપે હરડે અને હળદર મેળવીને પાણીમાં ફકાવી દેવામાં આવ્યાં. એ. ટી. એસ. ને બદલે પાકે નહીં તે માટે ખટાશ અને રસી ન થાય તે માટે ચીકણો અને પ્રવાહી.. દહીં, ગોળ, દૂધ, ફળો જેવો ખોરાક બંધ કરવામાં આવ્યો. ત્રીજે દિવસે દવાખાને એ આવ્યા ત્યારે હાથે પાટો જોઈ મેં પૂછ્યું: આ વળી શું પરાક્રમ કર્યું? તો કહે એક ચમત્કાર બતાવવા આવ્યો છું. પાટો ખોલી, લૂછીને બતાવ્યું તો બે ઈંચનો લાંબો કાપો સુવ્યવસ્થિતપણે સંધાઈ ગયો હતો! તેણે બધી વાત કરી અને ખાસ તો એ વાત